પરંતુ શું તમે જાણો છો કે આલિયાને સૌથી વધુ ડર લાગતો હોય તો તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેના વધતા જતા વજનથી સૌથી વધુ ગભરાટ થાય છે. અને આલિયા પોતાના જુના ફોટો પણ જોવાનું પસંદ નથી કરતી. હાલના સમયમાં આલિયા ભટ્ટ ચાર મિલિયન ડોલરની માલિક છે. એક વેબસાઈટ રિપોર્ટના સર્વ અનુસાર આલિયા ભટ્ટ માત્ર સત્યાવીસ વર્ષની ઉંમરમાં જ ચાર મિલિયન ડોલર એટલે કે અઠ્યાવીસ કરોડ રૂપિયાની માલિક છે. આલિયાની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર બહુ જ મોટા ખર્ચ છવાઈ જાય છે તેનું કારણ છે કે આલિયાના પરિશ્રમ અને સખત મહેનત. આલિયાની ફિલ્મ જેમકે હાઇવે, ટુ સ્ટેટ, ઊડતા પંજાબ, ડિયર જિંદગી, રાજી અને ગલી બોય જેવી બ્લોક બસ્ટર હિટ આપનારી આ આલિયાની કમાણીની બાબતમાં પણ સૌથી આગળ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આલિયા પોતાની દરેક ફિલ્મમાં ચાર કરોડ રૂપિયાનો ચાર્જ લેય છે. આલિયા માત્ર ફિલ્મ માંથી જ નહિ પરંતુ ટીવી એડ થી પણ કરોડોની કમાણી કરે છે. શું તમે વિચાર્યું છે આતો માત્ર ફિલ્મની જ કમાણી છે પરંતુ તેની એડ માંથી મળતી કમાણી પણ ફિલ્મ કરતા ઓછી નથી. એક રિપોર્ટ અનુસાર આલિયા વર્ષના ત્રણ કરોડ રૂપિયા માત્ર ટીવી એડ માંથી કમાય છે. આલિયા ભટ્ટ નવા નવા ઘરો ખરીદવાનો ઘણો રસ છે. હાલના સમયમાં આલિયા પાસે મુંબઈના જુહુમાં એક શાનદાર અને ભવ્ય ઘર છે. આ ઘરની કિંમત આશરે તેર કરોડની આસપાસ છે. આપણને જાણીને નવાઈ લાગે છે કે આ તો માત્ર આલિયા નું પહેલું ઘર છે અને આ સિવાય તેણે બીજા બે ઘર ખરીદી ચૂકી છે અને તેની કિંમત પણ આજે કરોડોમાં છે. મિત્ર શું તમે જાણો છો? આલિયા ભટ્ટે બોલિવૂડમાં પ્રવેશ લેવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. પોતે મહેશ ભટ્ટની દીકરી હોવા છતાં બોલિવૂડમાં પ્રવેશ લેવો તેમના માટે સરળ નહોતું ચારસો છોકરીઓની પસંદ બાદ કરણ જોહરે આલિયાનું સિલેક્શન 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માટે કર્યું જોકે તેની પ્રથમ ફિલ્મ હતી. આલિયા ભટ્ટ ને બાળપણથી ડાયરી લખવાનો ખૂબ જ જબરો શોખ હતો. એ પણ કહેવામાં આવે છે કે જ્યારે આલિયા દુઃખી હોય કે જ્યારે તે કોઈ નિર્ણય ના લઈ શક્તિ હોય ત્યારે તે સૂવાનું પસંદ કરે છે .આલિયા ભટ્ટ નું માનવું છે કે પરેશાન રહેવાથી સારું છે કે સુઈ જવું. આલિયાના જીવનમાં સૌથી મહત્વકાંક્ષી કોઈ જો હોય તો એ છે તેના પિતા મહેશ ભટ્ટ. આલિયાના બાળપણમાં પોતાના પિતા સાથે વધુ સમય વિતાવ્યો નથી. આલિયા ને માટે તેના પિતા મહેશ ભટ્ટ હંમેશા તેમના એક સેલિબ્રિટી રહ્યા છે. આ અભિનેત્રી શોધી રહી છે પતિ, આવો પતિ જોઈએ છે એમ ઈચ્છા કરી જાહેર ટીવી જગત ની લોકપ્રિયતા કોઈ થી છુપેલી નથી. તેમાં આવનારા તમામ સિરિયલ ઘર ઘર માં તેની ઓળખ ઉભી કરે છે. સિરિયલ મારફતે તેમાં કામ કરનારા સિતારાઓ પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યા છે.